તેથી મહત્વપૂર્ણ હવે જ્યારે સ્પેસ સ્ટેશન મેસેચ્યુસેટ્સ ઉપર જશે, મારો પરિવાર બહાર દોડી જતો અને તેઓ તેજસ્વી તારો જોશે આકાશમાં. વહાણમાં અને જ્યારે મેં નીચે જોયું, હું મારું ઘર જોઈ શક્યો નહીં, પરંતુ તેનો અર્થ મારા માટે ઘણું છે કે લોકોને હું સૌથી વધુ પ્રેમ કરું છું હું નીચે જોતી હતી ત્યારે ઉપર જોતા હતા. તેથી અવકાશ મથક, મારા માટે તે સ્થાન છે જ્યાં મિશન અને જાદુ એક સાથે આવે છે. આ મિશન, કાર્ય મહત્વપૂર્ણ પગલાં છે. આપણા ગ્રહ કરતા આગળ વધવાની અમારી ખોજમાં અને સમજવા માટે આવશ્યક છે .પૃથ્વી પર અહીં ટકાઉપણું મને તેનો ભાગ બનવું ગમ્યું અને જો હું લઈ શક્યો હોત મારું કુટુંબ મારી સાથે, હું ક્યારેય ઘરે આવ્યો ન હોત અને તેથી સ્ટેશનથી મારો મત મને બતાવ્યો કે આપણે બધા એક જ જગ્યાએથી છીએ. આપણે બધાની ભૂમિકાઓ છે.કારણ કે, પૃથ્વી એ આપણું વહાણ છે. જગ્યા એ અમારું ઘર છે અને આપણે સ્પેસશીપ અર્થના ક્રૂ છીએ. આભાર. શાહરૂખ ખાન: પ્લાસ્ટિકને ના કહો. એક વસ્તુ જે બધા પર્યાવરણીય યોદ્ધાઓ અમને શીખવે છે, પરંતુ અમે દિવસની શરૂઆત અને અંત એ વસ્તુઓ સાથે કરીએ છીએ. જે વાસ્તવમાં આ વર્ચ્યુઅલ માંથી અવિનાશી સામગ્રી. સત્ય એ છે કે અમારો વપરાશ અને પ્લાસ્ટિકનો નિકાલ પહોંચ્યો છે. આવા બિનસલાહભર્યા પ્રમાણમાં પહોંચી ગયો છે કે આપણે દરેક વિચાર અને સ્ત્રોતનો ઉપયોગ કરીને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. કૃપા કરી સ્વાગત કરો જેમને ભારતના કચરા વ્ય- વસ્થાપનનાં પ્રશ્નોના નિરાકણમાં મદદ કરી છે. મણિ વાજપેયી, વરિયાળી રાષ્ટ્રના રિસાયકલ અને કોફાઉન્ડેર/ મુખ્ય કારોબારી અધિકારી. મણિ વાજપેયી: જો રિસાયકલિંગ એ ઓલિમ્પિક રમત હોત, ભારત ગોલ્ડ મેડલ જીતે. સમગ્ર વિશ્વમાં ભારતનો પ્લાસ્ટિક રિસાયકલિંગ અને પુન:પ્રાપ્તિ નો સૌથી વધુ દર છે. સિંગાપુર, ઉત્તર અમેરિકાના દેશો અને યુરોપના દેશોની પસંદ કરતા પણ વધારે. ભારત તેના પ્લાસ્ટિક કચરાના સાઠ ટકાથી વધુ સુધારણા અને રિસાયકલ કરે છે, જ્યારે અમેરિકા જેવા વિકસિત દેશોમાં માત્ર દસ ટકાનું સંચાલન થાય છે. સંગ્રહનો આ ઉચ્ચ દર મોટા ભાગે શક્ય છે. લાખો અનૌપચારિક રિસાયકલ, કબાડીવાળાઓ, ભાંડીવાળાઓ અને રદ્દીવાળાઓને આભાર કે જે આપણે ભારતના દરેક શહેરની દરેક શેરી ખૂણા પર શોધીએ છીએ અને હજી સુધી રિસાયકલનું નેટવર્ક સર્વવ્યાપક, વ્યાપક અને જટિલ હોવા છતાં, ભારતનું રાષ્ટ્રીય દૃશ્યાવલિ ગંદકી અને ગૌરવનું પ્રભુત્વ છે અને સામાન્ય દ્રષ્ટિ તે છે કે આપણે આપણા પ્લાસ્ટિકને રિસાયકલ કરતા નથી.